તમે તે અમને થોડું સમજાવી શકો છો? કારણ કે મારી દૃષ્ટિ એટલી સારી નથી પરંતુ હું ઘણી ભાવનાઓ જોઉં છું. કોહ: તો આ મારો સમુદાય છે, આ કોહિલિશન છે. હું દરરોજ પ્રવાહ કરું છું. મે દિવસનો પડકાર લીધો છે અને જેમ કે આપણે સુંદર સમુદાયનો વિકાસ કર્યો છે અહીં ચેનલમાં. હમણાં આપણી સાથે લગભગ લોકો છે. તમે જે જોવો છો તે "હેલો ટેડ" ની સારી ભાવનાઓનો સ્પામ છે. "આ અદ્ભુત છે," "હાય ગાય્સ," "હાય, દરેક." આ માત્ર વિશાળ લોકોનો સમૂહ રમનારાઓનો વિશાળ સંગ્રહ તે બધા સકારાત્મક ઘટના માણી રહ્યા છે. તો એવું કંઈ પણ છે જે શું આપણે ચેટ પોલ કરી શકીએ? હું ચેટને એક સવાલ પૂછવા માંગું છું; "શું ત્યાં કઈ છે જે ચેટ દુનિયાને ગમશે? અને ખાસ કરીને આ લોકો જે પર મારી સાથે છે હમણાં, વિડિયો ગેમ્સ રમી શું મેળવે તે જાણવા માટે અને આ સમુદાયનો ભાગ છે?" કોહ: ઓહ, વાહ. હું ઘણા જવાબો જોઈ શકું છું. "મને સારા સ્પંદનો ગમે છે." "શ્રેષ્ઠ સમુદાયો ટ્વિચ પર છે." "તેઓ અમને જીવનના કપરા રસ્તે મેળવે છે." ઓહ, તે સંદેશ હું ચોક્કસપણે ટ્વિચ પર ઘણું જોઉં છું જે ખૂબ સારું છે. હું મારી વાત કરવા પાછો આવું તે પહેલાં જે મને ખરેખર જોઈએ કોઈક સમયે કરવા પાછા આવો. તમારી પાસે બીજું કંઈ છે કે તમે મારી સાથે શેર કરવા માંગો છો અથવા કોઈપણ પ્રશ્ન જે તમે પૂછવા માંગતા હતા? તમે હંમેશા પ્રેક્ષકો પહેલાં ત્યાં જવા માટે ઇચ્છતા? કોહ: પ્રમાણિકપણે, વધારે નહીં. મારો મતલબ મને ગમે છે જે તમે કરી રહ્યા છો. મને લાગે છે કે ઇન્ટરેક્ટિવ સ્ટ્રીમિંગ મોટી અવિભાજિત સીમા છે ભવિષ્યના મનોરંજનમાં અને કરવા બદલ આભાર બધું તમે ત્યાં કરી રહ્યા છો. વધુ લોકો જે સાંભળે છે તમે જે કરો છો તે વિશે વધુ સારું અહીંના દરેક માટે. સરસ. ખુબ ખુબ આભાર. હું પાછો જાઉં છું હવે આ વાત આપવા, પરંતુ આપણે પછીથી પકડવું જોઈએ. સારું લાગે છે. તો તે વાત કરવાની નવી રીત હતી. અમે પ્રભાવીત છીએ પ્રવાહ પર શું થયું એથી. તેના સાથેના અનુભવથી અમે કોક્રિયેટ છે અને અમને ખરેખર મલ્ટિપ્લેયર અનુભવ હતો ચેટ સાથે અને કોહ સાથે. ટ્વિચ પર અમે આ કહેવાનું શરૂ કર્યું છે. પરિણામે, "મલ્ટિપ્લેયર મનોરંજન" કારણ કે એકલા વિડિઓ જોવા જવાથી જીવંત ઇન્ટરેક્ટિવ પ્રવાહ જોવું એક ખેલાડી રમત રમવા જેવા તફાવત સમાન છે મલ્ટિપ્લેયર રમત રમવા માટે.